આ એક વાર્તા છે જે સમજાવે છે કે જુદા જુદા લોકો દ્વારા મુશ્કેલીઓ કેવી રીતે જુદી જુદી રીતે મળે છે. આશા નામની એક છોકરી હતી જે એક ગામમાં તેના માતા અને પિતા સાથે રહેતી હતી. એક દિવસ, તેના પિતાએ તેને એક સરળ કાર્ય સોંપ્યું. તેને ઉકળતા પાણી થી ભરેલા ત્રણ વાસણો લીધા. તેને એક વાસણમાં ઈંડુ મૂક્યું, બીજા વાસણમાં બટાકા અને ત્રીજા વાસણમાં ચાના પાન. તેને આશને લગભગ દસથી પંદર મિનિટ સુધી વાસણો પર નજર રાખવા કહ્યું, જ્યારે ત્રણ અલગ અલગ વાસણો માં ના ત્રણ ઘટકો બાફેલા જાય. તે સમય પછી, તેણે આશાને બટાકાની અને ઇંડાની છાલ કાઢવા, અને ચાના પાનને તાણવા કહ્યું. આશા મૂંઝવણમાં પડી ગઈ હતી તેણી સમજી ગઈ હતી કે તેના પિતા તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે જાણતી નહોતી કે તે શું છે. તેના પિતાએ સમજાવ્યું, "ત્રણેય ચીજો એક જ સંજોગોમાં મૂકવામાં આવી હતી. જુઓ કે તે કેવી રીતે અલગ પ્રતિક્રિયા આપી છે. " તેમણે કહ્યું કે બટાકા નરમ થઈ ગયા છે, ઇંડા સખત થઈ ગયા છે, અને ચાના પાંદડાથી પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ ગયો છે. તેમણે વધુમાં કહ્યું, "આપણે બધા આ વસ્તુઓમાંથી એક જેવા છીએ. જ્યારે પ્રતિકૂળતા કહે છે, ત્યારે અમે તેમની જેમ બરાબર પ્રતિસાદ આપીએ છીએ. હવે, તમે બટાકા, ઇંડા અથવા ચાના પાન છો? " એક વાર્તા કહે છે કે બે મિત્રો રણમાંથી પસાર થતા હતા. મુસાફરીના કેટલાક તબક્કે તેમની વચ્ચે દલીલ થઈ, અને એક મિત્રએ બીજા ને ચહેરા પર ચાબુક માર્યો. જેને થપ્પડ મારીને ઈજા થઈ હતી, પણ કંઈ બોલ્યા વિના રેતીમાં લખ્યું; "આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મને ચહેરા પર થપ્પડ મારી. " તેઓ ત્યાં સુધી ચાલતા જતા હતા જ્યાં સુધી તેમને એક નદી ન મળે, જ્યાં તેમને સ્નાન કરવાનું નક્કી કર્યું. જેણે થપ્પડ માર્યો હતો તેમાં ઊંડા પાણી માં ફસાઈ ગયો અને ડૂબવા લાગ્યો, પણ મિત્રે તેને બચાવી લીધો. તે નજીકમાં ડૂબી જતા સ્વસ્થ થયા પછી, તેણે એક પથ્થર પર લખ્યું; "આજે મારા સૌથી સારા મિત્રએ મારું જીવન બચાવ્યું. " જે મિત્રએ થપ્પડ મારીને તેનો શ્રેષ્ઠ મિત્રને બચાવ્યો હતો તેણે તેને પૂછ્યું; "મેં તમને પહોંચાડ્યા પછી તમે રેતીમાં લખ્યું અને હવે, તમે પથ્થર પર લખો છો, કેમ? " બીજા મિત્રએ જવાબ આપ્યો; "જ્યારે કોઈ આપણને દુખ પહોંચાડે છે ત્યારે આપણે તેને રેતીમાં લખવું જોઈએ જ્યાં ક્ષમાના પવન તેને ભૂંસી શકે. પરંતુ, જ્યારે કોઈ આપણા માટે કંઈક સારું કરે છે, ત્યારે આપણે તેને પથ્થરમાં કોતરવું જોઈએ જ્યાં કોઈ પવન ક્યારેય તેને ભૂંસી ન શકે. "।